તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને જણાવ્યું છે કે, "કોરોનામાં તબિયત બગડ્યા પછી તેમને કેટલીક દવાઓથી કોમ્પ્લિકેશન્સ થયા હતા, જેનાથી તેમની કિડની પર અસર પડી હતી. તેમની આ સંબંધિત સારવાર ચાલી રહી હતી." જોકે, અધ્યક્ષ બી. એન. તિવારીએ નવભારત ટાઈમ્સ સાથેની વાતચીતમાં તેમના નિધનની પુષ્ટિ કરતા તેમના નિધનનું કારણ હાર્ટ એટેક જણાવ્યું છે. પ્રેસિડેન્ટ બોલ્યા, "ઘણા દિવસોથી ઇલાજ ચાલુ હતો." ફિલ્મ એસોસિએશન પ્રેસિડેન્ટ અભય સિંહાએ પહલાજ નિહલાનીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, "તેઓ ઘણા દિવસોથી બીમાર હતા, હોસ્પિટલમાં હતા. રાત્રે ત્રણ વાગ્યે તેમનું અવસાન થયું છે. વારંવાર તેમના હોસ્પિટલાઇઝ થવાના સમાચાર આવી રહ્યા હતા. હાલમાં તેમના નિધનનું કારણ સ્પષ્ટ નથી." ઇન્ડસ્ટ્રીએ એક સારો માણસ ગુમાવ્યો. ખૂબ મોટા પ્રોડ્યુસર હતા. તેઓ પણ ચેરપર્સન હતા. તેમણે ખૂબ મોટા-મોટા કામ કર્યા. શત્રુઘ્ન સિંહાના ખૂબ નજીક હતા, તેમની દરેક પાર્ટીમાં પહોંચતા હતા. અંતિમ દર્શન માટે પહોંચ્યાં સેલેબ્સ:- ગોવિંદા, ફરહાન, અખ્તર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, ડેવિડ ધવન. પહલાજ નિહલાનીના નિધન બાદ તેમને અંતિમ વિદાય આપવા માટે ડિરેક્ટર ડેવિડ ધવન પણ પહોંચ્યા. પહલાજ નિહલાનીના અંતિમ સંસ્કાર આજે બપોરે ત્રણ વાગ્યે મુંબઈના સાન્તાક્રુઝ હિંદુ સ્મશાનભૂમિમાં થશે. પહલાજ નિહલાનીની લોકપ્રિય ફિલ્મો:- પહલાજ નિહલાની ફિલ્મ પ્રોડ્યુસર છે. તેમણે શત્રુઘ્ન સિંહા-રીના રોય અભિનીત 'હથકડી', ગોવિંદા-દિવ્યા ભારતી અભિનીત 'શોલા ઔર શબનમ', ગોવિંદા-ચંકી પાંડે અભિનીત 'આંખેં', અનિલ કપૂર-કરિશ્મા કપૂર અભિનીત 'અંદાઝ', અક્ષય કુમાર-કરીના કપૂર અભિનીત 'તલાશ', અને ગોવિંદા અભિનીત 'રંગીલા રાજા' જેવી ફિલ્મો બનાવી છે. પહલાજ નિહલાનીની કારકિર્દી પર એક નજર:- પહલાજ નિહલાનીએ ઓગરીસો બિયાસી માં પ્રોડ્યુસર તરીકે પહેલી ફિલ્મ 'હથકડી' બનાવી અને અહીંથી જ તેમની ફિલ્મી સફરની શરૂઆત થઈ. ત્યારબાદ ઓગરીસો પંચ્યાસીમાં તેમની બીજી ફિલ્મ 'આંધી-તૂફાન' રિલીઝ થઈ, જેણે તેમને બોલિવૂડમાં એક નિર્માતા તરીકે ઓળખ અપાવી. વર્ષ ઓગરીસો છીયાસી માં તેમણે ફિલ્મ 'ઇલ્ઝામ' બનાવી, જેનાથી ગોવિંદાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મ હિટ રહી અને ગોવિંદાને દેશભરમાં ઓળખ મળી. તેના પછીના જ વર્ષ ઓગરીસો સત્યાસીમાં આવેલી 'આગ હી આગ' દ્વારા ચંકી પાંડેએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ જ વર્ષે નિહલાનીએ 'ગુનાહો કા ફૈસલા' પણ બનાવી. ઓગરીસો નેવું ના દાયકામાં પહેલજ નિહલાનીએ 'શોલા ઔર શબનમ' અને 'આંખે' જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું. ખાસ કરીને 'આંખે' તે સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક સાબિત થઈ અને તેણે તેમની સફળતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. પહલાજ નિહલાનીને પાંચ વર્ષ પહેલા લોહીની ઊલટીઓ થઈ હતી, જેના પછી તેઓ અઠયાવીસ દિવસ સુધી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ રહ્યા.